રાજા-કદના ફોલ્ડિંગ દીવાન બેડની ડિઝાઇન પરંપરાગત દીવાનના આરામને ફોલ્ડિંગ બેડની સુવિધા સાથે જોડે છે, જેઓને આરામદાયક જગ્યાની જરૂર હોય પરંતુ કાયમી પલંગ માટે જગ્યાહોય તેવા લોકો માટે તે સંપૂર્ણ ઉકેલ બનાવે છે. જ્યારે તમારા રાજા-કદના દીવાન પલંગને સ્ટાઇલ કરવાની વાત આવે છેત્યારે તમે વિવિધ તકનીકોનો ઉપયોગ કરી શકો છો. એક વિકલ્પછે કે સ્ટેટમેન્ટ હેડબોર્ડ અથવા રંગબેરંગી બેડસ્પ્રેડનો ઉપયોગ કરીને ફોકલ પોઇન્ટ બનાવવો. તમે તમારા રૂમને આકર્ષક વાતાવરણ આપવા માટે પૂરક રંગો અને પેટર્નમાં કેટલાક સુશોભન ગાદલા અને થ્રો પણ ઉમેરી શકો છો. તમારા ઘરમાં દિવાન બેડ પ્લેસમેન્ટ પર ટીપ તમારા ઘરમાં દિવાન પલંગ માટે શ્રેષ્ઠ પ્લેસમેન્ટ શોધવા માંગો છો પણ નક્કી નથી કરી શકતા? તમારા ઘરમાં દીવાન પલંગ મૂકવાનો નિર્ણય કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાના કેટલાક મુદ્દાઓ અહીં છેઆગળ વાંચોદિવાન પલંગના હેતુને ધ્યાનમાં લોદિવાન પથારી વિવિધ હેતુઓ માટે કામ કરી શકે છે, જેમ કે સૂવું, બેસવું અથવા આરામ કરવો. તમારા ઘરમાં શ્રેષ્ઠ પ્લેસમેન્ટ નક્કી કરવા માટે દિવાન બેડના પ્રાથમિક ઉપયોગને ધ્યાનમાં લોરૂમનું કદ તપાસોદીવાન પથારી વિવિધ કદમાં આવે છે, અને તમારા રૂમમાં આરામદાયક રીતે બંધબેસતા યોગ્ય કદની પસંદગી કરવી જરૂરી છે. દીવાન પલંગનું શ્રેષ્ઠ પ્લેસમેન્ટ અને કદ નક્કી કરવા માટે રૂમને માપોરૂમના ટ્રાફિક ફ્લોને ધ્યાનમાં લોદિવાન બેડની પ્લેસમેન્ટ રૂમના ટ્રાફિક ફ્લોમાં દખલથવી જોઈએ. ખાતરી કરો કે બેડની આસપાસ મુક્તપણે ખસેડવા માટે પૂરતી જગ્યા છે. કુદરતી પ્રકાશને ઑપ્ટિમાઇઝ કરોપૂરતો કુદરતી પ્રકાશ મેળવતા વિસ્તારોમાં દીવાન પથારી આરામદાયક છે. કુદરતી પ્રકાશનો લાભ લેવા માટે પલંગને બારીઓની નજીક રાખવાનો વિચાર કરો. હૂંફાળું ખૂણો બનાવોજો તમે હૂંફાળું ખૂણો બનાવવા માંગતા હો, તો રૂમના એક ખૂણામાં દીવાન પલંગ મૂકવાનું વિચારો. આરામદાયક નૂક બનાવવા માટે તમે વધારાની બેઠક અથવા સુશોભન તત્વો ઉમેરી શકો છો. તમારે દિવાન પથારી શા માટે ખરીદવી જોઈએ તેના કારણો નીચે આપેલા કારણો છે કે શા માટે દિવાન પથારીમાં રોકાણ કરવું શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છેતમે તેમને સસ્તા ભાવે મેળવો છો લક્ઝરી પથારી ખૂબ ખર્ચાળ છેઆ હકીકતને નકારી શકાય નહીં. જ્યારે લક્ઝરી બેડ સર્વોચ્ચ આરામની ખાતરી આપે છે, ત્યારે દિવાન પથારી સમાન આરામ આપે છે અને તેની કિંમત લગભગ ગણી સસ્તી છે. તેમના માટેનું વલણ દૂર થતું નથી દર વર્ષે વૈભવી પથારીઓ માટે નવી, નવીન ડિઝાઇન આવતી રહે છે. જો કે, દિવાન પથારી લાંબા સમયથી ટ્રેન્ડમાં છે અનેપથારી ખરીદનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. લક્ઝરી હોટલ પણ તેનો ઉપયોગ કરે છે કારણ કે તે તમામ પ્રકારની ફર્નિચર શૈલીઓ સાથે મેળ ખાય છે. તેઓ વધુ સ્ટોરેજ ઓફર કરે છે.